કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ આ પાક વીમા યોજનામાં ફેરફારો કર્યા છે. બે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તપોવન પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે પુરના પાણી ઓસરવા લાગ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ સહાય કરવામાં આવશે .એવી જ રીતે પાંચ પુલ અને એનટીપીસીના ઓફિસ સંકુલને નુકસાન થયું છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને કારણે આવેલા ભીષણ પુરમાં મૃત્યુ પામનારના દરેકના પરિવારજનને મહેરનીરૂએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ગંભીર ઈજા પામેલા દરેક જણને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એક તબક્કે ભારતે તોતેર રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ગુજરાતની એક્યાસી નગરપાલિકાઓ એકત્રીસ જિલ્લા પંચાયતો અને બસ્સો એકત્રીસ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે .હિમપ્રપાતના લીધે ધૌલી ગંગા નદીમાં અચાનક આવેલા પુરના કારણે નદી કાંઠા વિસ્તારના કેટલાક મકાનો નાશ પામ્યા છે. સરકારે આ વર્ષે પાક વીમા યોજના માટે બજેટમાં ત્રણ અબજ પાંચ કરોડ રૂપિયા વધુ ફાળવીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઉત્તરાખંડ આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળે જણાવ્યું છે કે બાર વ્યક્તિઓને બચાવી લેવાઈ છે .એક સો પચાસ જણા લાપતા બન્યા છે અને અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળી આવ્યા છે .દરમિયાન ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સૈની બિરાજી સહિત ચાર અસરગ્રસ્ત ગામોના વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે .કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે વધુ ફાળવણીના લીધે વધુ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળશે. સત્તાવાળાઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં ના બસ્સો જવાનો સેનાની ચાર કોલમો બે તબીબી ટુકડીઓ ગોઠવી છે .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળ અને આસામમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે .અધીને તેત્રીસ જ્યારે ઈશાંત શર્મા અને શાહબાઝ નદીમે બાવીસ વિકેટ ખેરવી હતી .ગઈકાલે ભારતની શરૂઆત નબળી રહી હતી. ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બાલાસિનોર બસ મથકોનું લોકાર્પણ જિલ્લા પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .સર્કલ ઓફિસર કે મામલતદારશ્રી દ્વારા સ્થળ પર કરેલા પંચનામાને પી જ્યારે માંડવી બસ મથક ત્રણ દક્ષિણ ગુજરાતમાં સુરત ,નવસારી ,વલસાડ જિલ્લા તરફથી પ્રવેશેલા વરસાદી વાદળ કાલે હળવો વરસાદ આપે તેવી આગાહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન આગામી અડતાલીસ કલાકમાં થવાની વૈજ્ઞાનિક ધારણા હવામાન ખાતાએ રજૂ કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના બધા જ એસટી ડેપોને તબક્કાવાર આધુનિક સુવિધાવાળા બનાવવાની યોજના અમલમાં મૂકાઈ છે પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શહેરા અને વેજલપુર ખાતેના નવા બસ મથકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ સી દૈનિક છ સો લીટર જેટલું ઊંટડીનું દૂધ એકત્ર કરાય છે. ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આધુનિક બસ સ્ટેશનોનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું જિલ્લામાં આવેલી સરકાર હસ્તકની જમીનોની તપાસણી માટે સરવે નંબરના સ્થળ તપાસ સહિતની કામગીરીમાં સમયનો બચાવ હવે શક્ય બનશે રાજ્યમાં પર્યાવરણને અનુકુળ ઇલેક્ટ્રીક બસ ચલાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.